મલ્ટી-ડ્રોઅર કેબિનટ્સ, છુપાવી શકાય તેવા કિચન એપ્લાયન્સ અને ફોલ્ડ કરી શકાય તેવા ડ્રોઅર્સ તમારા રસોડામાં વધારાનો સ્ટોરેજ આપી શકે છે. તે તમારા રસોડામાં આશ્ચર્યજનક તત્વ ઉમેરે છે. તમારી નિયમિત રસોઈ જગ્યાને કાર્યક્ષમ બનાવે છે. છુપાયેલ સંગ્રહ ખુલ્લા રસોડામાં કાર્યક્ષમતા વધારે છે. પરંપરાગત ઓપન કિચન ડિઝાઇન આઇડિયાઝ પરંપરાગત ડેકોર સાથે ખુલ્લું રસોડું જૂના અને નવાનું સંપૂર્ણ મિશ્રણ છે. લાકડાના ફ્લોરિંગ, એમ્બિયન્ટ લાઇટિંગ, ડ્રેપિંગ કર્ટેન્સ અને ઉત્કૃષ્ટ કિચન હૂટસની જૂની સુવિધાઓને ઓપન કિચન સેટ-અપમાં બદલી શકાય છે. ડ્રાઇગ અને સીટિંગ એરિયાને ઓપન કિચનના એક ભાગ તરીકે સામેલ કરી શકાય છે. તેમના મૂળ પ્રત્યે સાચા રહીને ઉન્નત કાર્યક્ષમતા શોધતા લોકો માટે યોગ્ય છે. પરંપરાગત ખુલ્લા રસોડાની છબી સ્માર્ટ ઓપન કિચન ડિઝાઇન આઇડિયાઝ તમારા રસોડામાં કેટલાક સ્માર્ટ ગેજેટ્સ કરતાં તમારા જીવનને કંઈ સરળ બનાવતું નથી. સ્માર્ટ ઓપન કિચન તમારી ખાદ્ય ચીજોને લાંબા સમય સુધી તાજી અને તંદુરસ્ત રાખવા માટે સ્ટીમ ઓવન, વેક્યુમ ડ્રોઅર્સ તેમજ ફ્રીજ જેવા હાઇ-ટેક કિચન સાધનોનો ઉપયોગ કરે છે. બિલ્ટ-ઇન એપ્લાયન્સિસ, મોશન-સેન્સર અને ગરમ પાણીના નળ સ્માર્ટ ઓપન કિચન ડિઝાઇનમાં રસોઈની સરળતામાં વધારો કરી શકે છે. ઉચ્ચ તકનીકી ઉપકરણો ખુલ્લા રસોડામાં સરળ રસોઈમાં મદદ કરે છે. ફ્લોટિંગ શેલ્ફ સ્ટોરેજ ઓપન કિચન ડિઝાઇન આઇડિયા સંકુચિત જગ્યાઓ માટે અન્ય જીવન-બચાવવા હેક ખુલ્લા સ્ટોરેજ વિકલ્પો સાથે ખુલ્લું રસોડું છે. ફ્લોટિંગ અથવા ખુલ્લા છાજલીઓ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે વ્યૂહાત્મક રીતે રસોડાના કાઉંટરટૉપની ઉપર મૂકવામાં આવે છે, ત્યારે છાજલીઓ કેબિનેટના કુદરતી વિસ્તરણ જેવા દેખાય છે. તેઓ જાર, બોટલ અને રસોઈના વાસણો સ્ટોર કરવા માટે યોગ્ય છે. ઓન-ડિસ્પ્લે લાર્ડર્સ અને જડીબુટ્ટીઓ અને મસાલાઓ માટે ડોર-લેસ કેબિનેટ પણ ખુલ્લા રસોડામાં ઉપયોગી એક્સેસરીઝ હોઈ શકે છે. ફ્લોટિંગ છાજલી બી ટ્રેન્ડી અને સ્ટાઇલિશ છે. જો તમે તમારું ઘર જમીનથી બનાવી રહ્યા છો, તો તમારા બેકયાર્ડ સાથે જોડાયેલ ઓપન કિચન અથવા તો કિચન ગાર્ડન બનાવવાનો સારો વિચાર છે. આધુનિક ડિઝાઇન અને સારું આયોજન તે કરી શકાય છે, અને તમને વાત કરવા યોગ્ય રસોડું મળે છે. ઓપન કિચન ડિઝાઈન ઘરની અંદર તેની મોટી બારીઓ અથવા કાચના પાર્ટીશનો સાથે બહાર લાવે છે જે અંદર ઘણી બધી કુદરતી પ્રકાશ અને તાજી હવાને મંજૂરી આપે છે. રસોડા એવા લોકો માટે યોગ્ય છે કે જેઓ તેમના બેકયાર્ડમાં નાના ગેટ-ટુગેધર્સને હોસ્ટ કરવાનું પસંદ કરે છે અથવા જે લોકો તેમની બાર્બેક નાઇટ પસંદ કરે છે. બહારથી જોડાયેલા ખુલ્લા રસોડા બેઠકના વધુ સારા વિકલ્પો ઓફર કરી શકે છે.